બીજી તરફ પીળો રંગ સુખ અને સમૃદ્ધિનો રંગ છે. તે એક એવો રંગ છે જે સર્જનાત્મકતા, સકારાત્મકતા અને ખુશીને પ્રોત્સાહિત કરે છે. ગણપતિના ફૂલોની સજાવટમાં બે રંગોને એકસાથે લાવો, અને તમારી પાસે એવી વસ્તુ છે જેના વિશે લોકો વાત કરવાનું બંધ કરી શકતા નથી. દાખલા તરીકે, સરંજામ આઈડિયાની સર્વોચ્ચ થીમ સોના, સફેદ, ક્રીમ અને પીળા ટોનથી ઘેરાયેલી છે. શેડ્સને રજૂ કરવા માટે મેરીગોલ્ડ અને જાસ્મિન જેવા ફૂલોનો ઉપયોગ ફક્ત શણગારની સુંદરતામાં વધારો કરે છે. ઘરે ગણપતિ માટે મોર પીંછા અને કૃત્રિમ ફૂલ શણગાર. કાર્ડબોર્ડ, કૃત્રિમ ફૂલો અને મોરના પીંછા વડે બનાવેલ ગણપતિ ફૂલ શણગાર. તમારા ઘરે ગણપતિ માટે ફૂલ ડેકોરેશન સાથે નવીનતા મેળવો. કોણે કહ્યું કે માત્ર તાજા ફૂલો સુંદર લાગે છે? ઉપરની છબીનો સંદર્ભ લો અને કૃત્રિમ ફૂલો અને મોરના પીછાઓથી પ્રેરિત થાઓ. કાગળ અથવા કાપડના ફૂલોનું રંગબેરંગી મિશ્રણ અજાયબીઓનું કામ કરશે અને તમારા શણગારમાં થોડી હળવાશ ઉમેરશે, જ્યારે મોરનું પીંછા ફક્ત જગ્યાની સુંદરતામાં વધારો કરશે. બેકડ્રોપ માટે, તમે તમારા ઘરની કોઈપણ ઉચ્ચારણ દિવાલનો ઉપયોગ કરી શકો છો અથવા કોઈપણ દિવાલને સર્વોપરી દેખાદતા ડ્રેપથી આવરી શકો છો, અને તમારું સેટઅપ પૂર્ણ થઈ ગયું છે! ઓર્કિડ સાથે ગણપતિ ફ્લાવર ડેકોરેશન. એપાર્ટમેન્ટમાં ગણપતિના ફૂલોની સજાવટ માટે વિવિધ પ્રકારના ઓર્કિડનો ઉપયોગ કરવામાં આવે છે. ઓર્કિડ અદભૂત ફૂલો છે જે સૌંદર્ય અને વશીકરણ માટે ઊભા છે. તેઓ વિચારશીલતા, પ્રેમ અને સંસ્કારિતા પણ દર્શાવે છે, જે તેમને ઘરે ગણપતિ માટે ફૂલોની સજાવટ માટે ઉત્તમ પસંદગી બનાવે છે. ફક્ત ઓર્કિડનો ઉપયોગ કરતી વખતે, વાયોલેટ, પીળો, વાદળી અને સફેદ જેવા વિવિધ શેડ્સ માટે જાઓ અને તેને તમારા મંદિરની ફ્રેમની આસપાસ કલાત્મક રીતે લપેટો. સમાન ટોન્ડ બેકડ્રોપનો ઉપયોગ કરો અને ભગવાન ગણેશના પગ પાસે કેટલાક ઊંચા દિયા સ્ટેન્ડ મૂકો. તમારા શણગારમાં ફૂલોનો ઉપયોગ કરવાની ઘરગથ્થુ અને હલચલ-મુક્ત રીત. ગુલાબી અને સફેદ ગણપતિ ફ્લાવર ડેકોરેશન. તાજા અને કૃત્રિમ ફૂલો સાથે ગુલાબી અને સફેદ ગણપતિ ફૂલોની સજાવટ. ગુલાબી અને સફેદ બંને સુંદર રંગો છે અને તહેવારોની સજાવટ અને લગ્નના સ્ટેજની સજાવટમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. તેથી, ગણપતિ ફૂલના શણગારમાં થીમ તરીકે તેને પાછળ છોડવાનું કોઈ કારણ નથી. ઉપરોક્ત છબીનો સંદર્ભ લો અને સફેદને પ્રભાવશાળી ભૂમિકા ભજવવા દો જ્યારે ગુલાબી સહાયક ભાગીદાર તરીકે કાર્ય કરે છે. ગુલાબી પ્રેમ, સંવાદિતા અને સ્ત્રીત્વનો રંગ છે. તે સારા સ્વાસ્થ્ય, દયા અને રમતિયાળતાનું પણ ભારપૂર્વક પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન ગણેશ સાથે સંકળાયેલા તમામ ગુણો. સફેદ રંગ પવિત્રતા અને સદ્ગુણનો રંગ છે, અને બે રંગો સૌંદર્યલક્ષી રીતે આનંદદાયક લાગે છે અને ગણપતિજીની દરેક વસ્તુ